બધા કપડા ઉતારી વાયરલ થયો વિડીયો સોશિયલ મીડિયા પર પોતાના સિઝલિંગ લુકથી લોકોના હોશ ઉડાવી દેનાર અભિનેત્રી અને મોડલ ઉર્ફી જાવેદ અવારનવાર ચર્ચામાં રહે છે. તેના નવા સ્ટાઈલની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. હવે ઉર્ફીનો નવો લુક ઈન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેને અભિનેત્રીએ થોડીવાર પહેલા તેના ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો. તમને જણાવી દઈએ કે આ વખતે ઉર્ફીએ પોતાનો નવો ડ્રેસ પીન કે સ્ટોનથી નહીં, પરંતુ સાઈકલ ચેઈનથી ડિઝાઈન કર્યો છે. હવે જ્યારે ઉર્ફી જાવેદનો નવો વિડિયો આવ્યો છે, તો વાતો તો થવાની જ છે. આવી સ્થિતિમાં, કેટલાક લોકો ઉર્ફીની સ્ટાઈલના વખાણ કરી રહ્યા છે તો કેટલાક તેને ફરીથી ટ્રોલ કરી રહ્યા છે. ઉર્ફી જાવેદે આજે એટલે કે શુક્રવારે તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી આ નવો વીડિયો શેર કર્યો છે. વીડિયોની શરૂઆતમાં, તમે જોઈ શકો છો કે ઉર્ફી ખાકી રંગનું શોર્ટ સ્કર્ટ અને મેચિંગ ક્રોપ ટોપ પહેરીને રોડ પર સાઈકલ ચલાવી રહી છે. અચાનક તેની સાયકલ ચેઈન તૂટી જાય છે. પહેલા ઉર્ફી તે ચેન સાથે રમતી જોવા મળી હતી, પરંતુ અચાનક તે જ ચેનથી બનેલો ડ્રેસ પહેરેલી જોવા મળી હતી. હવે ઉર્ફીના આ લુકને જોઈને દરેકને આશ્ચર્ય થાય છે કારણ કે કોઈએ અનુમાન લગાવ્યું ન હતું કે આ વખતે ઉર્ફી સાઈકલ ચેઈનથી જ ડ્રેસ બનાવશે. આ વીડિયોને શેર કરતાં ઉર્ફી જાવેદે કેપ્શન લખ્યું- સાયકલની સાંકળ! મેં પણ આ પોશાક વિશે વિચાર્યું ન હતું. આ મારો વિચાર નહોતો. એક મિત્રએ મજાકમાં કહ્યું કે તેણે સાઈકલ ચેઈનમાંથી ડ્રેસ બનાવ્યો છે. મેં વિચાર્યું કે મેં હજી સુધી તે કર્યું નથી પરંતુ હું કરી શકું છું. બીજી તરફ, ઉર્ફી જાવેદના આ લુક વિશે વાત કરીએ તો, તેણે આ ચેઈન ડ્રેસ સાથે તેના વાળને સોફ્ટ કર્લ્સમાં સ્ટાઈલ કર્યા છે. ઉર્ફીએ સોફ્ટ મેકઅપ, ગ્લોસી લિપ્સ અને બ્લેક હીલ્સ સાથે તેનો નવો લુક પૂર્ણ કર્યો. તમને જણાવી દઈએ કે ઉર્ફીના આ વીડિયોને થોડા જ સમયમાં પચાસ હજારથી વધુ લાઈક્સ મળી ચૂક્યા છે. જો કે આ લુક માટે ઘણા લોકો ઉર્ફીને ટ્રોલ પણ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું, 'હવે બહુ થઈ ગયું'. આ સિવાય અન્ય એક યુઝરે લખ્યું , 'તેણે પણ આ કેમ પહેર્યું છે'.